અને કિસ કરવાના આવા ફાયદા જાણીને તમે દંગ રહી જશો. શું તમે ક્યારેક વિચાર્યુ છેકે જેને તમે ખુબ પ્રેમ કરો છો તેને તમે કેટલી વખત કિસ કરી છે? જો તમે તમારા પ્રિય પાત્ર અને કિસ નિયમીત રીતે કરો છો, તો તમે ખુબ જ તંદુરસ્ત માણસ બની શકો છો. જી હા, એક અઠવાડિયા દરમ્યાન પાંચ કપલ્સ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમા આ ગજબની વાત જાણવવા માણી છે. આ રીસર્ચ આ રિસર્ચની શરૂઆતમાં શોધકર્તાએયોએ આ કપલ્સના બ્લડ પ્રેશર લેવલ, ડાયબટીક ટેસ્ટ, અને સ્ટ્રેસના અમુક ટેસ્ટ કર્યા હતા. કિસ કરતી વખતે ના કરો આ હરકત શોધકર્તાઓએ કપલ્સના કપલ્સના આ તમામ ટેસ્ટ બાંધ આ કપલ્સને એફ રૂમમાં બંધ રાખ્યા અને તેમને કહેવામાં આવ્યુ કે તમે વધુમાં વધુ તમારા રીલેશન પર ધ્યાન આપો વધુમાં તેમને કહેવામાં આવ્યુ કે એકબીજા સાથે કિસ દ્વારા ઇન્ટીમેટપણ થાવ. અને તેમણે તે કરવાની કોશિષ પણ કરી. સ્ટ્રેસ ફ્રી લગ્ન કરવા ઇચ્છો છો? તો લગ્ન પહેલા આટલું કરો .ત્યારબાદ એક અઠવાડિયા બાદ આ કપલ્સના તમામ તેજ ટેસ્ટ રીપીટ કરવામાં આવ્યા છે જે સપ્તાહની શરૂઆતમાં કરવામાં આવ્યા હતા. અને ચમત્કારિક રીતે લગભગ નેવ ટકા માં તેમના રીઝલ્ટ્સ ઘણાં પોઝીટીવ અને હેલ્થી હતા. વેલ આ નાનકડા સંશોધન્યથી એ બાબ એ સાબિત થયુ છે કે કિસ થી તમેં સારી તંદુરુસ્તી અને ટેન્શન ફ્રી લાઇફ મેળવી શકો છો. મગજની શાંતિ જ્યારે બે વ્યક્તિઓ એકબીજાને કિસથી સાંત્વના આપે છે, ત્યારે તેમના મગજ શાંતિનો અનુભવ કરે છે. શરીરને આરામની અનુમ અનુભૂતિ કરાવે છે, અને તે બંને શાંતિઓ અદમ્ય અનુભવ કરે છે. હ્રદય માટે સાઈનને વૈજ્ઞાનિક રીતે પણ હ્રદય માટે બ્રે બેસ્ટ મેડિસીન માનવામાં આવે છે. જ્યારે તમે તમારા પ્રિય પાત્રને કિસ કરો છો, ત્યારે તમે સુરક્ષિત અને શાંત અનુભવ કરો છો. જેને હ્રદય માટે બેસ્ટ માનવામાં આવે છે. કિસ થી તમારી ધમનીઓમાં રક્તપ્રવાહ નોર્મલ રહે છે, જેથી તે ને પણ કાબુમાં રાખે છે.